પરંતુ જ્યારે તમે સરકારને દો લોકોના બાળકો લો પ્રક્રિયા વિના અને લોકોને અનિશ્ચિત સમય માટે અટકાયત કરો કાઉન્સિલની પહોંચ વિના, તમે પરીક્ષણમાં નિષ્ફળ રહ્યા છો. હવે ઇમિગ્રન્ટ્સ માટે શું થઈ રહ્યું છે, જ્યાં આપણે બધા જઇ રહ્યા છીએ તેનું પૂર્વદર્શન છે. જો આપણે કાર્ય કરવામાં નિષ્ફળ જઈશું. આભાર. ઘણા શિક્ષકોની જેમ, દર વર્ષે શાળાના પ્રથમ દિવસે, હું આઇસબ્રેકર પ્રવૃત્તિ એક પ્રકારની દોરી મારા વિદ્યાર્થીઓ સાથે હું લિંકન હાઇ સ્કૂલમાં ભણાવું છું .લિંકન, નેબ્રાસ્કામાં અને આપણે સૌથી વૃદ્ધમાંના એક છીએ અને સૌથી વધુ વૈવિધ્યસભર ઉચ્ચ શાળાઓ અમારા રાજ્યમાં પણ, અમારા પછી જ્ઞાન માટે, અમે વિશ્વની એકમાત્ર હાઇ સ્કૂલ છીએ. જેનો માસ્કકોડ એક લિક્સ છે. જેમ, એક સાંકળ. હાસ્ય અને તે અમારું માસ્કોટ છે, અમારી ઇમારતની સામે એક પ્રતિમા છે. સાંકળની જેમ જોડાયેલ ચાર કડી અને દરેક કડી કંઈક અર્થ છે. અમારી લિક્સ પરંપરા માટે છે, શ્રેષ્ઠતા, એકતા અને વિવિધતા. તો શાળાના પહેલા દિવસે હું મારા નવા નવામા-ગ્રેડર્સ શીખવું છું તે લિંક્સ પાછળના અર્થ વિશે અને હું તેમને દરેકને કાગળની કાપલી આપુંછું. તે કાગળ પર, હું તેમને પૂછું છું પોતાના વિશે કંઈક લખવા માટે. તેકંઈક એવું હોઈ શકે છે જેને તેઓ પ્રેમ કરે છે, કંઈક કે જેની તેઓ આશા રાખે છે, કંઈપણ કે જે તેમની ઓળખ વર્ણવે છે અને પછી હું આસપાસ જાઓ સ્ટેપલર સાથેનો ઓરડો અને હું તે દરેક સ્લિપને સાથે મળીને રાખું છું સાંકળ બનાવવા માટે. અને અમે તે સાંકળને અમારા વર્ગખંડમાં અટકાવીએ છીએ સુશોભન તરીકે, ખાતરી કરો કે પણ ,એક રીમાઇન્ડર તરીકે આપણે બધા જોડાયેલા છીએ. અમે બધા કડીઓ છે. તેથી શું અ શુ થાય છે જ્યારે એક તે કડીઓ નબળી લાગે છે? અને જ્યારે તે નબળાઇ થાય ત્યારે શું થાય છે, સ્ટેપલર પકડી રાખનાર વ્યક્તિમાં છે. જે વ્યક્તિ માનવામાં આવે છે તે જોડાણો બનાવવા માટે શિક્ષક. શિક્ષકો તરીકે અમે દરરોજ કામ કરીએ છીએ. સામાજિક રીતે સમર્થન આપવા માટે, ભાવનાત્મક અને શૈક્ષણિક રીતે અમારી પાસે આવતા અમારા વિદ્યાર્થીઓને વિવિધ અને કઠિન સંજોગો સાથે,પર પરંતુ મારી પાસે વિદ્યાર્થીઓ પણ છે જે બેધર આશ્રય પર જાય છે અથવા ગ્રુપ હોમમાં. તેઓ તે કાર પર જાય છે જેનો તેમના પરિવારજનો છે હમણાં સૂઈ રહ્યો છે. તેઓ આઘાત સાથે શાળાએ આવે છે, અને જ્યારે હું દરરોજ ઘરે જઉં છું, તે મારી સાથે ઘરે જાય છે અને જુઓ તે સખત ભાગ છે શિક્ષણ વિશે. તે ગ્રેડિંગ નથી, પાઠ આયોજન, બેઠકો, ખાતરી હોવા છતાં, તે વસ્તુઓ કબજે કરે છે. શિક્ષકોનો સમય અને શક્તિનો મોટો સોદો અધ્યાપન વિશે.